મહેરબાની કરીને કોઈ ખોટા સમાચાર ન ફેલાવો. સાથી રેસલર્સ બજરંગ પુનિયાએ પણ આ અહેવાલોને ખોટા ગણાવ્યા હતા અને ટ્વિટર પર લખ્યું હતું કે આંદોલન પાછું ખેંચવાના સમાચાર માત્ર એક અફવા છે. આ સમાચારો આપણને નુકસાન પહોંચાડવા માટે ફેલાવવામાં આવી રહ્યા છે. અમે ન તો પીછેહઠ કરી છે કે ન તો અમે આંદોલન પાછું ખેંચ્યું છે. મહિલા રેસલર્સે એફઆઈઆર પાછી ખેંચી લીધી તે સમાચાર પણ ખોટા છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. ભારતે જાપાનને ફાઈવ-ઝીરો થી હરાવ્યું, હવે ફાઇનલમાં મલેશિયા સાથે થશે ટક્કર વેસ્ટ ઇન્ડીઝ ચોથી ટી-ટ્વેન્ટી સ્પિનર્સ ફરી કરી શકે કમાલ, જાણો ફ્લોરિડામાં કેવી છે પિચ અને મોસમની સ્થિતિ? યુવરાજ સિંહ પછી નંબર-ફોર પર કોઈ સ્થાન નિશ્ચિત કરી શક્યા નથી, એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલા રોહિત શર્માને આ વાતની ચિંતા. આઈસીસી ટૂર્નામેન્ટ પહેલા ભારતને ષડયંત્ર અંતર્ગત બતાવવામાં આવે છે ફેવરિટ, અશ્વિનનો દાવો. કુસ્તીબાજ અને સાક્ષી મલિકના પતિ સત્યવ્રત કાદિયાને પણ ન્યૂઝ એજન્સી એએનઆઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આ ફેક ન્યૂઝ છે. અમે વિરોધથી પાછળ હટ્યા નથી. અમારો વિરોધ ચાલુ રહેશે. જોકે સાક્ષી મલિક અને બજરંગ પુનિયા રેલવેની નોકરીમાં જોડાઈ ગયા છે. આ બંને રેલવેમાં ઓએસડી તરીકે કાર્યરત છે. ભારતના ટોચના રેસલર્સ રાષ્ટ્રીય રાજધાનીમાં એક મહિનાથી વધુ સમયથી ડબલ્યુએફઆઈના વડા બ્રિજ ભૂષણ સિંહ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમના રાજીનામાની માગ કરી રહ્યા છે. તેઓએ તેમની સામે જાતીય સતામણીના આરોપો પણ લગાવ્યા છે. આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસ ટૂંક સમયમાં આ મામલે ચાર્જશીટ દાખલ કરે તેવી સંભાવના છે. રેસલર્સના સમર્થનમાં આવી કપિલ દેવની વર્લ્ડ કપ વિજેતા ટીમ, કહ્યું મેડલ્સને લઇને ઉતાવળમાં કોઇ નિર્ણય ના કરે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે છેલ્લી ઉચ્ચ સ્તરીય બેઠક ટ્વેન્ટી સેવન મેના રોજ નવી સંસદના ઉદ્ઘાટનની પૂર્વસંધ્યાએ યોજાઈ હતી. વાટાઘાટો અનિર્ણિત હોવાથી કુસ્તીબાજોએ તેમના સમર્થકો સાથે મળીને નવી સંસદ તરફ કૂચ કરવાની તેમની યોજના સાથે આગળ વધ્યા હતા. તેમને રસ્તામાં રોકીને દિલ્હી પોલીસે તેમની સાથે મારપીટ કરી અટકાયત કરી હતી. પોલીસે તેમની સામે રમખાણો સહિતની અનેક કલમો હેઠળ એફઆઈઆર પણ દાખલ કરી હતી. કુસ્તીબાજોએ ગયા મંગળવારે ગંગામાં તેમના મેડલ્સને વિસર્જન કરવાનો નિર્ણય લીધો હતો. તેઓ હરિદ્વાર ગયા હતા, પરંતુ છેલ્લી ઘડીએ પુનઃવિચાર કર્યો હતો. ભાજપના એક નેતાનો ફોન આવ્યો હતો, જેમણે થોડો સમય માંગ્યો હતો, અને તેમના પરિવારોના દબાણ પછી મેડલ્સ વિસર્જન નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય કિસાન યુનિયન ના પ્રમુખ નરેશ ટિકૈત પણ હરિદ્વાર પહોંચ્યા હતા. તેમણે કુસ્તીબાજોને તેમના નિર્ણયને પાંચ દિવસ સુધી ટાળવા કહ્યું હતું. ટિકૈતે ખાપ પંચાયતમાં કહ્યું હતું કે સરકારને બ્રિજભૂષણ સિંહ સામે પગલાં લેવા માટે સેવન થી ટેન દિવસ આપવામાં આવે.